તમારા બગીચાને સુશોભિત ડેકોર પેટર્નથી સજાવવા માટે તમારા બધા ફૂલ પેટનસ માટે સમાન રંગ પસંદ કરો. તમે દરેક પોટસની સપાટી પર પેટર્ન અને છબીઓ ઉમેરવા માટે વિરોધ વિરોધાભાસી રંગોનો ઉપયોગ કરી શકો છો. તમારા બગીચામાંના તમામ પોટ્સ માટે રંગોનો એક શેડ સુસંગત દર્શાવે છે. અને રંગોના તેજસ્વી મિશ્ર માટે જો જાઓ જો તમે ઇચ્છો છો કે તમારા શોધ ને તેજસ્વી અને ચમકદાર રંગોના સમુદ્રમાં રાખવામાં આવે, તો બગીચાના દરેક પોટને અલગ-અલગ વાઇબ્રેટ શેડમાં રંગવાનું પસંદ કરો. તિરંગી લાલ, પ્રુશિયન વાદળી, જાંબલી, પીરોજી અને ચૂનો પીળો જેવા સરસ રંગોનું સારું મિશ્રણ પસંદ કરો. સુંદર ફ્લાવર પોટ બનાવવા માટે જૂના વાસણોને ફરીથી રંગો ઘરની નિયમિત વસ્તુઓને રંગવા માટે સર્જનાત્મક ફૂલ પોટ્સ પોટ્સની ડિઝાઇન શોધી રહ્યાં છો, ફક્ત તમારા રસોડામાં જાઓ અને તે તમે જે વાસણો ફેંકી દેશો તેને ફરીથી રંગ કરો. તે જૂની સ્ટ્રેનર હોય, ચાની કીટલી હોય, અથવા મીઠું અને મરી શેવક હોય, બધા કાઢી નાખેલા વાસણોનો બગીચાના વાસણો તરીકે ફરીથી ઉપયોગ કરી શકાય છે. તેમને સુંદર રંગો અને પ્રધાનતત્ત્વોથી રંગવાનું સુનિશ્ચિત કરો. અનન્ય ફ્લાવર પોટ ડિઝાઇન માટે નારિયેળના શેલનો ઉપયોગ કર કરો જો તમને મુશ્કેલી-મુક્ત અને ખર્ચ-અસરકારક ગાર્ડન પોટ ડિઝાઇન જોઈતી હોય, તો નારિયેળના પીછી પીચ નો સારો ઉપયોગ કરો. અડધા નાળિયેરના શેલને સાફ કરો અને તેને નવીન વાવેતર તરીકે સ્થગિત કરો. તમે શેલની સપાટી પર કેટલાક પટ્ટાઓ અને પેટર્ન કોતરવા માટે છરી જેવી તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. નવીન પોટલ ડોટ પેટર્ન માટે માર્ગ બનાવો છેલ્લું પરંતુ ઓછામાં ઓછું, તમારે હવે ફૂલના પોટને યોગ્ય રીતે કેવી રીતે રંગવું તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત તેને કોઈપણ મૂળભૂત રંગ ચળકાટ શેડથી રંગી દો અને વિરોધાભાસી શેડમાં સુંદર પોલ્કા બિંદુઓ ઉમેરો. આ ડિઝાઇન તમારા બગીચાની સજાવટ આધુનિક ટચ ઉમેરી શકે છે. ફ્લાવર પોટ ડિઝાઇન પર સારાંશ સ્ટાઇલિશ અને હળવા વજન વજનના ફૂલના પોટ્સ તમારી જગ્યામાં જીવન ઉમેરી શકે છે, પછી તે તમારો બગીચો હોય કે તમારી બાલ્કની. ફ્લાવર પોટની વિવિધ ડિઝાઈન છે જેમાંથી કોઈ પસંદ કરી શકે છે. ફ્લાવર પોટની સૌથી સારી વાત એ છે કે ઓછા રોકાણની વસ્તુ છે, પરંતુ જ્યારે સજાવટની વસ્તુ તરીકે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે તમારા ઘરને ભવ્ય અને સ્ટાઇલિશ બનાવી શકે છે. તમે હંમેશા બજારમાં ઉપલબ્ધ ફ્લાવર પોટની ડિઝાઇનનો ઉપયોગ કરી